રંગ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે અને રંગમાં દોરવામાં આવેલો દરવાજો તે પ્રતિબિંબિત કરે છે. અને સફેદ માત્ર મેટલ ગેટ પર સારું લાગતું નથી. તે એક મહાન લાકડાના દરવાજાના રંગ માટે પણ બનાવે છે, ખાસ કરીને જો તમારી પાસે પિકેટ વાડ અથવા બગીચો હોય. રંગમાં દોરવામાં આવેલા મેટલ અને વાંસના દરવાજા પણ આકર્ષક લાગે છે. શાંતિ માટે બ્લુ ગેટ પેઇન્ટ કલરબ્લુ ગેટ પેઇન્ટ કલર સ્ટાઇલિશ અને આકર્ષક લાગે છે જ્યારે મુખ્ય દરવાજાની વાત આવે છે ત્યારે વાદળી ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. રંગ શાંતિ, શાણપણ અને સ્થિરતાનું પ્રતીક છે. વાદળી રંગ ખાસ કરીને લોખંડ અને સ્ટીલના દરવાજા પર સારો લાગે છે. મેટ અને ગ્લોસી ફિનીશ બંનેકિસ્સામાં અદભૂત અપીલ બનાવી શકે છે. પીરોજ વાદળી મુખ્ય દ્વાર રંગ પેઇન્ટ ખાસ કરીને રસપ્રદ છે, ઉપરની છબીમાં બતાવ્યા પ્રમાણે. સંવાદિતા અને વૃદ્ધિ માટે ગ્રીન ગેટ પેઇન્ટ કલર માટીનો દેખાવ આપવા માટે ગ્રીન ગેટ પેઇન્ટ કલરનો ઉપયોગ કરો સ્રોતઅનસ્પ્લેશજ્યારે લીલા રંગના દરવાજા બહુ સામાન્યહોય, તે સારા લાગે છે. લીલોપ્રકૃતિનો રંગ છે અને તે વૃદ્ધિ, સંવાદિતા અને આરોગ્યનું પ્રતીક છે. રંગ તમારા મૂડને તરત ઉત્તેજીત કરવાની શક્તિ ધરાવે છે. તમારા મુખ્ય દ્વાર માટે આનો ઉપયોગ એક પ્રભાવશાળી પ્રવેશદ્વાર બનાવવા માટે કરો જે ગરમ અને આવકારદાયક લાગે. તે એક આદર્શ વુડ ગેટ પેઇન્ટ કલર માટે પણ બતાવે છે. લોકપ્રિય વુડ ગેટ પેઇન્ટ કલર તરીકે બ્રાઉન બ્રાઉન ગેટ પેઇન્ટ કલર લગભગ કાળા જેટલો લોકપ્રિય છે કાળા દરવાજાઓની જેમ, બ્રાઉન દરવાજા પણ લોકપ્રિય પસંદગી છે. ગામઠી ફિનિશ સાથે બ્રાઉન મેઇન ગેટ પેઇન્ટ કલર ધરતીનો દેખાવ આપે છે. તે હૂંફ અને વિશ્વસનીયતાનું પ્રતીક છે. રંગના દરવાજા લગભગ તમામ પ્રકારના બાહ્ય સાથે સારી રીતે ભળી જાય છે. બ્રાઉન કલરમાં લાકડાના તેમજ મેટલ બંને દરવાજા સારા લાગે છે. જો કે, જો તમે ધરતીનું આકર્ષણ બનાવવા માંગો છો, તો પછી લાકડાના દરવાજા માટે જાઓ. ખુશખુશાલ વાઇબ્સ માટે બ્રાઇટ યલો ગેટ પેઇન્ટ કલર તમારા ઘરને અલગ બનાવવા માટે પીળા ગેટ પેઇન્ટ કલરનો ઉપયોગ કરો સ્રોત પેક્સેલ્સ ચળકતા પીળા દરવાજાઓ જીવંત આકર્ષણ ધરાવે છે, અને વાસ્તુ મુજબ,રંગો સંબંધોમાં પ્રેમ અને આદરને પ્રોત્સાહન આપે છે. જો તમારી બાહ્ય દિવાલો સાથે રંગ સારી રીતે જાય છે, તો તમે તેના માટે જઈ શકો છો, ખાસ કરીને જો તમે સામાન્ય કરતાં વધુ કંઈક શોધી રહ્યાં હોવ. રીગલ લુક માટે ગોલ્ડન ગેટ પેઇન્ટ કલરગોલ્ડન ગેટ પેઇન્ટ કલરજ છે જે તમને રોયલ લુક માટે જોઈએ છે સ્રોતઅનસ્પ્લેશજો તમને શાહી અને ખાસ દેખાવ અને અનુભૂતિ જોઈતી હોય તો તમારા આખા ગેટને રંગવા માટે ગોલ્ડન